જો તમારી ઉપરની કેબિનેટમાં કાચની પેનલ હોય તો તમે તમારા રસોડામાં વસ્તુઓ વધુ ઝડપથી શોધી શકો છો. જો તમે તમારા રસોડાને વારંવાર ગોઠવતા હોવ તો ગ્લાસ શટર પણ તમારા સ્ટાઇલ રેસ્ટોરન્ટમાં ઉમેરી શકે છે. કાચના દરવાજા પણ રસોડાની ડિઝાઇનને ઊંડાણ આપે છે. જો તમને ગોપનીયતા માટે થોડા નક્કર દરવાજાની જરૂર હોય, તો સુંદર, નાજુક પડછાયાઓ બનાવવા માટે રિસેસ્ડ પેનલ્સનો ઉપયોગ કરવાનું વિચારો. નાના ઘરો માટે કાચના શટર સાથે કિચન કેબિનેટ્સ નાના ઘરો માટે કિચન કેબિનેટ માટે શ્રેષ્ઠ સામગ્રી મધ્યમ-ઘનતા ફાઇબરબોર્ડ મોટાભાગના ઘરોમાં બોર્ડનો ઉપયોગ થાય છે, જે વિવિધ ડિઝાઇન અને ફિનિશમાં ઉપલબ્ધ છે. હાર્ડવુડની તુલનામાં,પ્રકારનું રસોડું કેબિનેટ સરળ અને ગાઢ છે, જે તમને અનાજ-મુક્ત પૂર્ણાહુતિ પ્રદાન કરે છે જે નક્કર લાકડા અથવા પ્લાયવુડ સાથે શક્ય નથી. ને ધ્યાનમાં લેવાનો બીજો પ્લસ પોઈન્ટછે કે તે પાણી અને મોલ્ડ પ્રતિરોધક છે. સોલિડ વુડતેની ટકાઉપણું, આયુષ્ય અને ટકાઉપણું માટે જાણીતું છે, નાના કિચન કેબિનેટ માટે ઘન લાકડું ટોચનો વિકલ્પ છે. પ્રકારના વૂડ્સમાં ભારે વસ્તુઓનો સામનો કરવાની ક્ષમતા હોય છે. ઉપરાંત, નક્કર લાકડું પર્યાવરણને અનુકૂળ છે અને ટકાઉ સંસાધનો સાથે રચાયેલ છે. પ્લાયવુડનું વજન ઓછું હોય છે, અને મધ્યમ ટકાઉપણું હોય છે. જો ક્ષતિગ્રસ્ત હોય તો તેને સુધારવા માટે પણ સરળ છે. પ્લાયવુડ વ્યક્તિઓ માટે એક ઉત્તમ વિકલ્પ છે જેઓ મજબૂત, લાંબા સમય સુધી ચાલતી કિચન કેબિનેટ ઇચ્છે છે પરંતુ નક્કર લાકડા અથવા સ્ટેનલેસ સ્ટીલની ઊંચી કિંમત ચૂકવવા માંગતા નથી. મેલામાઇન આ પ્રકારના રસોડા કેબિનેટનો મોટાભાગે ઉપયોગ થાય છે અને તે તેમની મહાન ટકાઉપણું માટે વ્યાપકપણે જાણીતા છે. વધુમાં, મેલામાઇન ડાઘ, પાણી અને ગરમી પ્રતિરોધક છે. અન્ય કોઈપણ પ્રકારના કિચન કેબિનેટની સરખામણીમાં મેલામાઈનની કિંમત ઓછી છે. લેમિનેટએક બહુમુખી સામગ્રી છે જે વિવિધ રંગો, ડિઝાઇન, શૈલીઓ અને પેટર્ન બનાવવા માટે રેઝિન અને કાગળના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે. લેમિનેટ કાગળને મજબૂત લાકડાના સબસ્ટ્રેટ કોર પર કાળજી સાથે મૂકવામાં આવે છે, જે સામાન્ય રીતે પ્લાયવુડ, મધ્યમ-ઘનતા ફાઇબરબોર્ડ અથવા પાર્ટિકલબોર્ડથી બનેલું હોય છે. લેમિનેટતત્વોને સંયોજિત કરીને વિવિધ એપ્લિકેશનોમાં ટકાઉપણું, સુંદરતા અને કાર્યક્ષમતા પ્રદાન કરે છે. થર્મોફોઇલતમારા રસોડા માટે યોગ્ય ડિઝાઇન અને શૈલી પ્રાપ્ત કરવી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ થર્મોફોઇલ કિચન કેબિનેટ્સ દ્વારા પ્રદાન કરવામાં આવેલા વિકલ્પોની વિશાળ સંખ્યા સાથે, તમે તમારા ઘર માટે આદર્શ દેખાવ શોધી શકો છો. થર્મોફોઇલ કેબિનેટ્સ સામાન્ય રીતે મજબૂત કોર સાથે બાંધવામાં આવે છે જે પછી આધુનિક વેક્યૂમ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી હીટ-સીલ્ડ ફોઇલ જેવી સામગ્રીમાં પરિવર્તિત થાય છે. પ્રક્રિયા સરળ અને દૃષ્ટિની આકર્ષક પૂર્ણાહુતિની ખાતરી આપે છે જે તમારા